ભારતે બે અલગ-અલગ કેટેગરીમાં ઓસ્કાર જીત્યો છે. એ એસ એસ રાજામૌલીની ફિલ્મ એ બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં એવોર્ડ જીતીને દરેક ભારતીયને ગૌરવ અપાવ્યું હતું. ઉત્સવના વાતાવરણ વચ્ચે, ઓસ્કાર સમારોહમાંથી સામેલ ટીમનો વીડિયો જોયા બાદ ચાહકો નારાજ થઈ રહ્યા છે. શું છે આ વાયરલ વીડિયોમાં ચાલો જાણીએ. આ વિડિયોમાં ઓસ્કાર એવોર્ડ સમારોહ દરમિયાનની ક્ષણને કેપ્ચર કરવામાં આવી છે, જ્યારે સ્ટેજ પર બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નટુ નટુની જીતની જાહેરાત કરવામાં આવી હતી. નામની જાહેરાત થતા થતાંજ આખી ટીમ આનંદથી ચીસો પાડવા લાગે છે. વીડિયોમાં એસએસ રાજામૌલી, તેમની પત્ની અને રામચરણની પત્ની ઉપાસના જોવા મળે છે. આ ઉજવણી વચ્ચે લોકોએ જોયું કે ડોલ્બી થી થિયેટરમાં છેલ્લી સીટ પર ટીમ બેઠી હતી. ટીમને પાછળની સીટો પર બેઠેલી જોઈને ભારતીય દર્શકો પરેશાન છે. યુઝર્સે તેને અપમાન ગણાવ્યો છે. તેને લખ્યું- આર આર આર ટીમ એક્ઝિટ પાસે બેઠી છે. બીજાએ લખ્યું- આ અપમાન છે, કેમ ટીમ પાછળ બેઠી છે. ગુસ્સે થયેલ ફેન્સે લખ્યું- જ્યારે તમે જાણો છો કે આ લોકો જીતવાના છે, તો તમે તેમને પાછળની સીટ પર કેવી રીતે બેસાડી શકો છો? જોકે રાજામૌલીનું નામ નોમિનેશનમાં નહોતું. તેમાં સંગીતકાર એમએમ કીરાવાણી અને ગીતકાર ચંદ્રબોઝના નામ સામેલ હતા. બંને સ્ટેજ પાસે બેઠા હતા. જેથી જ્યારે નામની જાહેરાત થાય ત્યારે તેઓ તુરંત સ્ટેજ પર પહોંચી શકે. નાટુ નાટુ ગીતના સંગીતકાર એમએમ કીરાવાણીને ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. તેમની સાથે મંચ પર ગીતકાર ચંદ્ર બોઝ પણ જોવા મળ્યા હતા. કીરવાણીએ ગાતી વખતે વક્તવ્ય આપ્યું હતું. તેણે સૌનો આભાર પણ માન્યો. આંધ્ર પ્રદેશમાં જન્મેલા એમએમ કીરાવાની હિન્દી સંગીત પ્રેમી એમએમ કરીમ તરીકે ઓળખાય છે. આ તેમનો પહેલો એકેડમી એવોર્ડ છે. સાઉથની ફિલ્મો સિવાય કીરાવાણીએ ઘણા સુપરહિટ હિન્દી ગીતો પણ આપ્યા છે. એમએમ કીરાવાણીને મળેલા આ સન્માન માટે તેમને સોશિયલ મીડિયા પર ઘણા બધા અભિનંદન મળી રહ્યા છે. રાજમૌલી છેલ્લી સીટ પર દેખાતા ભડક્યા ફેન્સ. જતા-જતા પણ અનેકને હસાવતા ગયા સતીષ કૌશિક! આવી રહી છે તેમની છેલ્લી ફિલ્મ- ક્યારે અને ક્યાં દેખાશે? સતીશ કૌશિક આવા સ્ટાર્સમાંના એક હતા જેઓ તેમના ચોક્કસ કોમિક ટાઇમિંગ માટે જાણીતા હતા.